ડભોઈ ખાતેથી વડોદરા જિલ્લાને પીવાના પાણીના તથા પ્રવાસનના વિકાસ કામોનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ ઓગણીસ સંક્રમણના બત્રીસ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ત્રણ હજાર ત્રણ સો ત્રેસઠ થવા પામી છે મહીસાગર જિલ્લામાં કોરના આજે જિલ્લામાં વધુ તેર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે આ સાથે જિલ્લામાં કોરાના પોઝિટીવ કેસની સંખ્યા એક હજાર સાત સો સિત્તેર પર પહોંચી છે આ ઉપરાંત ગંભીર બિમારીથી પીડાતા હોય તેવા લોકોને રસી અપાશે મુખ્યમંત્રીએ ડભોઈ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ બે લોકાર્પણ કરતા ડભોઈ તાલુકાના ચુમોતેર ગામો અને ચૌદ નર્મદા વસાહતોની વસ્તીને પીવાનું પાણી મળશે મુખ્યમંત્રીશ્રી એ આ સાથે વડોદરા જિલ્લા પ્રશાસન દ્રારા પ્રકાશિત પંચ જળ સેતુ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું અભિયાન સુરત સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવાની હિલચાલ ચાલી રહી છે માતા યશોદા એવોર્ડ વલસાડ જિલ્લાનાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાઈ નિર્માણ પામનાર નર્મદા કેનાલ આધારીત વડોદરા બલ્ક પાઈપલાઈન યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ માટેની તૈયાઓ તૈયારીઓ શરૂ કરાઇ ગ્રામ્ય સ્તર સુધી રસીકરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે શ્રી પટેલે જણાવ્યું કે કોરોના વેક્સિન માટે સરકાર દ્વારા રાજ્યમાં આઈ એ એસ ઓફિસરોની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે કેન્દ્ર તરફથી ત્રીસ જેટલાં ડીપ ફ્રીજ પૂરા પડાશે રાજ્યમાં પ્રતિ માસે એક લાખ ઘરોને નળ કનેકશન આપવામાં આવી રહ્યા છે ગ્રામ્ય સ્તર સુધી રસીકરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉમરપાડા ખાતે તાપીકરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહુર્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસના નવા દ્વાર ખુલશે તેમણે કહ્યું કે સરળ કામગીરી માટે રાજ્યના તેત્રીસ જિલ્લાના તાલુકા અને મહાનગર પાલીકામાં કાર્યદળની રચના કરવામાં આવી છે આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાનાં બહાદુરપુર અને ગોળાગામડી વચ્ચે બાઈક અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે શ્રી રૂપાણી એ રાજ્યનાં આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે દસ જેટલી અમલી બનેલી સિંચાઈ યોજનાઓથી આદિવાસી વિસ્તાર નવી તકો સાથે નંદનવન બનશે તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી જો કે કેન્દ્રના માર્ગદર્શન પ્રમાણ તેમાં ફેરફાર થઈ શકે છે રૂપાણી સિંચાઈ આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસ સમૃધ્ધિના નવા દ્વાર ખુલશે રાજકોટ જિલ્લા વેક્સિન રાજકોટ જિલ્લા કલેકટર તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન સંદર્ભે આગોતરુ આયોજન કરાઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં આજે કોરોનનાં વધુ આઠ કેસ પોઝિટિવ નોંધાયા અન્ય બનાવમાં સાગબારા તાલુકાનાં અમિયારા ગામ વચ્ચે બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા એક ટ્રક ચાલકનું ધટના સ્થળે જ મોત નીપજ્યું છે ત્યારે બીજો ટ્રક ચાલક ગંભીર રીતે ધાયલ થતાં સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો છે